જો કે, આ સમજ તરતજ વધુ સારી સારવાર તરફ ન દોરી ગઈ. સામાન્ય રીતે, પ્રાચીન ગ્રીકોએ ઔષધીય વનસ્પતિઓ અને આહારમાં ફેરફાર, સૂચવ્યો હતો. જો તેઓ માનતા હતા કે જપ્તી ખોપરીમાં રક્તસ્રાવ દ્વારા થઈ છે. તેઓ ક્યારેક ટ્રેપેનેશન નામની તકનીક માં કાર્યરત હતા. પ્રારંભિક શસ્ત્રક્રિયામાં, શારકામ શામેલ હતું, જેમાં ખોપરીમાં એક છિદ્ર લોહીને છટકી જવા દે છે અને મગજ પરનું દબાણ દૂર કરે છે. ટ્રેપેનેશનમાં... મોટા જોખમો હતા. પરંતુ તે ઓગણીસમી સદી સુધી નહોતું, જે વૈજ્ઞાનિકો બનાવશે આગળની છલાંગ. જપ્તીની સારવારમાં, બે જર્મન સંશોધકોએ શોધ કરી જે વીજળીનો ઉપયોગ કરે છે. કૂતરાના ચોક્કસ વિસ્તારોને ઉત્તેજીત કરવા મગજ તેના શરીરના ભાગોને ખસેડી શકે છે. તે જ સમયે, અન્ય વૈજ્ઞાનિકોએ મગજ અને નર્વસ સિસ્ટમની શોધ કરી જેમાં કોષો નેટવર્ક દ્વારા જોડાયેલા હતા, જેને ચેતાકોષ કહેવાય છે, જે સમગ્ર શરીરમાં વિદ્યુત સંકેતોને પ્રસારિત કરે છે. આનાથી મગજને નિયંત્રણ કેન્દ્ર તરીકે સ્થાપના થઈ. ચેતના આવેગ માટે જે આપણા વિચારો અને હલનચલન નક્કી કરે છે. આ મોડેલે તેને સ્પષ્ટ કર્યુંકે હુમલાઓ તે નિયંત્રણ કેન્દ્રમાં, ભૂલોને તે કારણે થયા હતા, જેમ કે ન્યુરોન્સને ખોટી રીતે ફાયરિંગ કરવું અથવા વધારે વિદ્યુત પ્રવૃત્તિ. પ્રારંભિક પ્રયોગોએ પણ સૂચવ્યુ કે ખોટી ફાયરિંગની વિવિધ પેટર્ન જપ્તીના અલગ અલગ પ્રકારો અને લક્ષણોનું કારણ દર્શાવી કરી શકે છે, તેથી જો હુમલા થવાના કારણ ચેતાકોષને ખોટી રીતે ફાયરિંગ કરવા એ હતા, તો આ બનવાથી ડોકટરો કેવી રીતે રોકી શકે? સર ચાર્લ્સ લોકોક જેવા ચિકિત્સકોએ અનુમાનિત કર્યુંકે શામક દવાઓ અતિ સક્રિય મગજની પ્રવૃત્તિને શાંત કરી શકે છે, હુમલાની સારવાર દ્વારા તેમણે એક સિદ્ધાંત ની પુષ્ટિ કરી પોટેશિયમ બ્રોમાઇડ। નામની દવા સાથે. અન્ય, સર વિક્ટર હોર્સલી એ દર્શાવ્યું કે ક્ષતિગ્રસ્ત ભાગોને દૂર કરવાથી મગજ દર્દીના હુમલાને રોકી શકે છે. તેણે ક્રેનિયોટોમી કરી, મગજની ખરાબ પેશીઓ કાઢવા માટે,અસ્થાયી રૂપે દર્દીનો ખોપરી નો ભાગ દૂર કર્યો . તેનો દર્દી બચી ગયો,એટલું જ નહીં પરંતુ તેના હુમલામાં સુધારો થયો, સર્જિકલ સારવારમાં, વધુ સંશોધન શરૂ કરી રહ્યા છે આગામી બે સદીઓમાં, આંચકી ની સારવાર ઝડપથી આગળ વધે. અને આજે, ત્યાં ડઝનેક જપ્તી દવાઓ ઉપલબ્ધ છે જે અભૂતપૂર્વ વિશિષ્ટતા સાથે કામ કરે છે. કેટલીક નવી દવાઓ ચોક્કસ પ્રોટીન પર ધ્યાન કેન્દ્રિત કરવા સક્ષમ છે, જે ચેતાકોષમાં વિદ્યુત પ્રવૃત્તિ મેનેજ કરવામાં મદદ કરે છે. સ્પષ્ટ મગજ નુકસાન વિનાના કેસમાં અથવા અમુક પ્રકારની પૂર્વ-અસ્તિત્વની શરતો, તે નક્કી કરવું અતિ મુશ્કેલ છે કે ચેતાકોષોને ખોટી રીતે શું ઉશ્કેરે છે. શા માટે કેટલીક